આ જ કાર્યક્રમમાં રિમિ સેન, જેકી ભાગનાની, ગરબા ગાયિકા નિશા ઉપાધ્યાય-નિગમ ઉપાધ્યાય, એ. એમ. ઝેડ ઇવેન્ટના ચેરમેન આકાશ અગ્રવાલ, ચિરાગ વૈષ્ણવ, જીપીએસ સ્કૂલના ડાયરેક્ટર અભિલાષા અગ્રવાલ, અપેક્ષા પટેલ, વિરલ શાહ, વગેરે. આખરે રિમિ સેને શાળાના વિદ્યાર્થીઓ સાથે ગરબા રમ્યા. વચન પણ આપ્યું હતું કે તે નિશ્ચિતપણે નવરાત્રીમાં ગરબા રમવા વડોદરા આવશે. રિમી સેને જણાવ્યું હતું કે, આગામી ઓગણત્રીસ સપ્ટેમ્બરથી શરૂ થતા નવરાત્રિ મહોત્સવમાં પણ વડોદરા આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે ઉમેર્યું કે, સુરતમાં આવી છું. પરંતુ વડોદરામાં પ્રથમ વખત આવી છું. વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે. હું ચોક્કસ નવરાત્રિમાં આવીશ. છોકરાઓ ત્યાં તો નથી જ. આ તે પ્રકારનાં કાર્યો છે જે છોકરીઓ ખૂબ જ મનોરંજન સાથે કરે છે, ભલે આ માટે તેમને કેટલો સમય આપવો જોઇએ, તેઓ પીછેહઠ કરતા નથી. તો ચાલો જાણીએ છોકરાઓ માટે કઈ કઈ બાબતો મુશ્કેલ છે: કોઈ છોકરીઓ કરતાં કલાકો સુધી સતત બોલ્યા વિના અને વાત કર્યા વિના, છોકરો કેવી રીતે સારું કરી શકે છે. ઘણી વાર છોકરીઓ એવા લોકો વિશે પણ વાત કરે છે જેમના પગ અથવા હાથ નથી. પરંતુ છોકરીઓ આ કામો ખૂબ આનંદ સાથે કરે છે. કલાકો સુધી સતત ખરીદી: જો કોઈ ચોવીસ કલાક સતત ખરીદી કરી શકે છે, તો તે છોકરીઓ છે. આ કિસ્સામાં, છોકરાઓ છોકરીઓને બરાબર હરાવી શકતા નથી. તૈયાર થવાના કિસ્સામાં: જો તમારે કોઈ વિશેષ જગ્યાએ જવું હોય અને છોકરીઓને તૈયાર થવા માટે કહેવામાં આવે, તો તે ઘણો સમય લે છે. પરંતુ છોકરાઓ છોકરીઓ કરતા ઘણો ઓછો સમય લે છે. પાણી પ્રત્યે પ્રેમ: છોકરાઓ જ્યાં પાણીથી ડરતા હોય છે, ત્યાં છોકરીઓ ઉનાળા અથવા શિયાળામાં ન્હાવા માટે કોઈ સમય વિતાતી નથી. ભલે તે ગમે તેટલી ઠંડી હોય, છોકરીઓ નહાવાનું છોડી દેતી નથી.